મારા ઘરમાંથી બહાર નિકળી જા, ભાવનાની સાસુ તેના દીકરા પર બૂમો પાડી રહી હતી કારણ કે તેણે ગરીબ પરિવારની છોકરી ભાવના સાથે દહેજ લીધા વિના કોર્ટ મેરેજ કર્યા હતા. સાસુની ખૂબ ઇચ્છા હતી કે જો દીકરો ભણ્યો હોય તો તેની કિંમત પણ પાછી મળે. પરંતુ આ ઇચ્છા તેના મનમાં રહી. ભાવનાનો પતિ આશિષ પણ તેની માતાને સમજાવવાનો અને માફી માંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ માતા કંઈ સાંભળવા તૈયાર નહોતી. અંતે, આશિષ તેની પત્ની ભાવના સાથે ઘર છોડીને ચાલ્યો ગયો. આશિષને પણ બે ભાઈઓ અને એક બહેન હતી. તેમની ઉંમરમાં બે વર્ષનો તફાવત હતો. તેઓ બધા લગ્નયોગ્ય ઉંમરના હતા. આશિષ ઘર છોડીને ગયા પછી, તેણે તેની માતાને ઘણી વાર ફોન કર્યો, પરંતુ તેની માતાએ ક્યારેય કંઈ સારું કહ્યું નહીં કે તેને ઘરે આવવા કહ્યું નહીં. છતાં, આશિષ કહેતો, મમ્મી, મારા ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે. હું તમારી કૃપા ક્યારેય ભૂલીશ નહીં. દહેજ માટે લોભી આશિષની માતાએ તેના બંને દીકરાઓને ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરણાવ્યા. પણ બંને પુત્રવધૂઓ એટલી બધી નખરાં કરતી અને આળસુ હતી કે આશિષની માતાનું જીવન બરબાદ થઈ ગયું. જ્યારે પણ આશિષની બહેનના લગ્ન નક્કી થતા, તે જ્યાં પણ જતી ત્યાં દહેજની માંગણી કરવામાં આવતી. આશિષની માતા પાસે પૈસા નહોતા, અને પુત્ર અને પુત્રવધૂ કંઈ આપવા તૈયાર નહોતા. જ્યારે સાસુ અને પુત્રવધૂ આ વિશે ચર્ચા કરતા, ત્યારે તેઓ કહેતા, પૈસા ઝાડ પર ઉગતા નથી. તમને બંનેને સારું ખાવા-પીવાનું મળે છે, તેથી તેનાથી ખુશ રહો! છોકરીની ઉમર થઈ રહી હતી અને ઘરમાં તેનું ખૂબ અપમાન થઈ રહ્યું હતું. બાળકો અને પુત્રવધૂ બંને માતા અને બહેનને ઘરના નોકરા માનતા હતા. આ કરો, તે કરો.. એક દિવસ, થાકી ગયા પછી, આશિષની માતા તેની પુત્રી સાથે આશિષના ઘરે પહોંચી. આશિષ ઓફિસમાં હતો. ભાવના અને બાળકો ઘરે હતા. બાળકો તેમને આજી અને આત્યા કહેતા. આશિષની માતાને આશ્ચર્ય થયું કે આટલા નાના બાળકો, જેમણે તેને ક્યારેય જોઈ પણ ન હતી, તે આટલા પ્રેમથી કેવી રીતે વર્તશે? ભાવનાએ પણ તેની સાસુનું પૂરા આદરથી સ્વાગત કર્યું અને આશિષને ઘરે બોલાવ્યું. સાસુને નવાઈ લાગી; ઘરની બંને પુત્રવધૂઓએ તેમને ક્યારેય તેમના બાળકો સાથે વાત કરવા પણ દીધા ન હતા. આશિષ પણ આવ્યો. તેણે ફક્ત એટલું જ કહ્યું કે હવે તું અહીં કાયમ રહેવા માંગે છે. હવે આશિષની માતાને તેની પુત્રવધૂની ભલાઈ સમજાઈ ગઈ. બાળકો તેમની દાદી અને કાકી સાથે રમવા લાગ્યા. બે-ચાર દિવસ પછી, ભાવનાએ તેના મિત્રના ભાઈને